અસરો તીવ્ર બનશે. દક્ષિણ એશિયામાં વિશાળ પ્રદૂષણ ધાબળા. આનાથી લોકોએ જોખમમાં મુકતા હવામાનમાં ધરખમ પરિવર્તન લાવ્યું છે. પરિણામે, ભારતમાં દુષ્કાળને કારણે આર્થિક વિકાસ તૂટી શકે છે. એસિડ વરસાદ અને શ્વસન રોગને લીધે અકાળ મૃત્યુ વનસ્પતિઓ અને માણસોને એકસરખો ભય છે. ભારત, ચીન અને ઇન્ડોનેશિયા સૌથી વધુ અસરગ્રસ્ત દેશો હોવાને કારણે, એશિયન પ્રદેશોમાં વધતી જતી વસ્તી, આર્થિક વિકાસ અને ઘટતા જતા જંગલો, હવામાન પ્રણાલીને તીવ્ર અને વિક્ષેપિત કરવાના પ્રદૂષણના આંચળાની અસરોનું કારણ બની રહ્યા છે. રાત્રે તે મારા પરિચિત રૂમમાં વસ્તુઓ દેખાતી અને સંભળાતી તે વિચિત્ર રીત હતી જેણે મને ખૂબ ડરી ગઈ. ત્યાં ક્યારેય સંપૂર્ણ અંધકાર નહોતો, પરંતુ સ્ટ્રીટ લાઇટ અથવા પસાર થતી કાર લાઇટ્સ ખુરશી ઉપર લટકાવેલા કપડાંને અજાણ્યા પશુના આકાર પર લઈ જાય છે. મારી આંખના ખૂણામાંથી, જ્યારે પવન ન હોય ત્યારે મેં પડદા ખસેડતા જોયા. ફ્લોરમાં એક નાનો તિરસ્કાર, દિવસના પ્રકાશ કરતાં સો ગણો મોટેથી અવાજ કરશે અને મારી કલ્પનાશક્તિ સંભાળી લેશે, ઘરફોડ ચોક્કો અને રાક્ષસો બનાવશે. અંધકાર હંમેશા મને લાચાર લાગે છે. મારું હૃદય ધબકતું હતું અને હું હજી પણ સૂઈ રહીશ જેથી 'દુશ્મન' મને શોધે નહીં. મારો બીજો બાળપણનો ડર એ હતો કે હું ખોવાઈ જઈશ, ખાસ કરીને શાળાથી ઘરે જતા. દરરોજ સવારે, હું મારા ઘરની નજીક જ સ્કૂલ બસ પર ચડ્યો તે કોઈ સમસ્યા નહોતી. શાળા પછી, જ્યારે, બધી બસો વળાંક સાથે. ભી હતી, ત્યારે હું ગભરાઈ ગયો હતો કે હું ખોટી વાહન ચલાવીશ અને કોઈ અજાણ્યા પાડોશમાં લઈ જઇશ. હું મારા મિત્રોના ચહેરા માટે બસ સ્કેન કરું છું, બસ ડ્રાઇવર તે જ હતો જે સવારે હતો તે સુનિશ્ચિત કરું, અને તે પછી પણ બીજાઓને વારંવાર પૂછવા ખાતરી કરું, હું સાચી બસમાં હતો. મનોરંજન પાર્ક અથવા સંગ્રહાલયમાં શાળા અથવા કુટુંબની યાત્રાઓ પર, હું નેતાઓને મારી નજરથી દૂર થવા દેતો નહીં. અને અલબત્ત, જ્યારે હું વોક અથવા હાઇક લેવાની વાત કરું ત્યારે હું ક્યારેય બહુ સાહસિક નહોતો કારણ કે હું ત્યાં જ જતો હતો જ્યાં મને ખાતરી હતી કે હું ક્યારેય ખોવાઈશ નહીં. સંભવત, મને એક બાળક તરીકેનો સૌથી ખરાબ ભય એ હતો કે અન્ય લોકો દ્વારા પસંદ ન કરવામાં આવે અથવા સ્વીકારવામાં ન આવે. સૌ પ્રથમ, હું એકદમ શરમાળ હતો. બીજું, હું મારા દેખાવ વિશે સતત ચિંતિત હતો, વિચારતા લોકો મને પસંદ નહીં કરે કારણ કે હું ખૂબ ચરબીયુક્ત હતો અથવા કૌંસ પહેરતો હતો. મેં 'જમણા કપડા' પહેરવાનો પ્રયત્ન કર્યો અને મારી માતા સાથે શાળામાં કાઠીવાળા પગરખાંના બદલે ફ્લેટ્સ પહેરવાના મહત્વ અંગે તીવ્ર દલીલો થઈ. તે સમયે લોકપ્રિય થવું મારા માટે ખૂબ મહત્વનું હતું અને ન ગમવાનો ડર શક્તિશાળી હતો. બાળકથી પુખ્ત વયે વિકસિત થવાની એક પ્રક્રિયા આપણા ડરને ઓળખવા અને તેને દૂર કરવામાં સક્ષમ છે. મેં શીખ્યા છે કે અંધકારને પોતાનું જીવન લેવું પડતું નથી, જ્યારે હું ખોવાઈ જઈશ ત્યારે અન્ય લોકો મને મદદ કરી શકે છે અને તે મિત્રતા અને નિષ્ઠાથી લોકો મને પસંદ કરવા માટે।